વાદળી અને ચાંદીમાં રંગ-પ્રેરિત જન્મદિવસની સજાવટ હોમ બર્થડે પાર્ટીનું આયોજન કરતી વખતે ધ્યાનમાં રાખવા જેવી બાબતો ઘરે જન્મદિવસની પાર્ટીનું આયોજન કરતી વખતે ધ્યાનમાં લેવા જેવી કેટલીક બાબતો છે સ્થાન હા, તે એક તે એક હાઉ હાઉસ પાર્ટી છે પરંતુ તમારે તમારા મહેમાનોને સમાવવા માટે તમારા ઘરમાં કઈ જગ્યાનો ઉપયોગ કરવો છે તે તમારે નક્કી કરવાની જરૂર છે. તે બેકયાર્ડ, લિવિંગ રૂમ, બગીચો, ટેરેસ, પૂલ વિસ્તાર વગેરે હોઈ શકે છે. યાદ રાખો, તમે જે પણ જગ્યા નક્કી કરો- ઇન્ડોર કે આઉટડોર, તે તમારા મહેમાનો માટે પાર્ટીનો આનંદ માણી શકે તેટલી મોટી હોવી જોઈએ. થીમ પસંદ કરો જો તમે થીમ આધારિત જન્મદિવસની પાર્ટી ફેંકી રહ્યા છો, તો તમારા મિત્ર અથવા સંબંધીના હિત મુજબ યોગ્ય થીમ પસંદ કરવી મહત્વપૂર્ણ છે. ઉપરાંત, થીમને વળગી રહેવું અને તે મુજબ સુશોભન, કેક, આમંત્રણ અને કોસ્ચ્યુમનું આયોજન કરવું મહત્વપૂર્ણ છે. પ્રવૃત્તિઓ તમે કંટાળાજનક પાર્ટીના હોસ્ટ બનવા માંગતા નથી, બરાબર? તેથી, તમામ વય જૂથો માટે આદર્શ હોય તેવી રમતો અથવા પ્રવૃત્તિઓની યોજના બનાવો. ઉદાહરણ તરીકે, બાળકો માટે ડાન્સ સ્પર્ધા અથવા મ્યુઝિકલ ચેર અથવા ટ્રેઝર હન્ટ અથવા ડમ્બ ચૅરેડ્સ અને પુખ્ત વયના લોકો માટે પોકર, કરાઓકે વગેરે. કેક અને ફૂડ મેનૂ લિપ-સ્મેશિંગ કેક અને ફૂડ વિના કોઈપણ પાર્ટી પૂર્ણ થતી નથી. તેથી, યોગ્ય કેક નક્કી કરો અને તમે મહેમાનોને પીરસવાના છો તે ખાદ્યપદાર્થોની યાદી બનાવો. ઘરની પાર્ટીઓ માટે જન્મદિવસની સજાવટની સરળ ટિપ્સ લવંડર અને મીણબત્તીઓ સાથે સુંદર ડાઇનિંગ ટેબલ સેટિંગ ઘરની પાર્ટીઓ માટે અહીં કેટલીક સરળ અને ઝડપી સજાવટ ટિપ્સ છે તમારી પાર્ટીની થીમ અથવા સન્માનિત મહેમાનોના ફોટા સાથે અસ્થાયી રૂપે તમારી દિવાલ પરના ચિત્રોને સ્વેપ કરો. ટેબલને તરતતેજ કરવા માટે ડાઇનિંગ ટેબલ પર ટેબલક્લોથ અથવા કેટલાક યાર્ડ ફેબ્રિક મૂકો. તમારા બહારના છોડને અંદર લાવીને અથવા તમારા સમગ્ર ઘરમાં નાના ફૂલદાનીઓમાં ઓછામાં ઓછી ફ્લોરલ ગોઠવણી કરીને વાતાવરણને તાજું બનાવો. ઉપર જણાવ્યા મુજબ, ઉત્સવનો માહોલ બનાવવા માટે તમારી બારીઓ અથવા દિવાલોને ફેરી લાઇટથી સજ્જ કરો. રંગબેરંગી લાઇટ્સ, મીણબત્તીઓ અને લાઇટ ડિમર વડે મૂડ બરાબર સેટ કરો. તમારી બધી સંગ્રહિત સુંદર વાનગીઓ, ફેન્સી ટેબલવેર, સર્વિંગ બાઉલ અને કાચનાં વાસણો બહાર કાઢો અને તે ખાસ પ્રસંગો પર તેનો આનંદ માણો. ક્લાસિયર લાકડાની ખુરશીઓ સાથે તમારી પ્લાસ્ટિક ફોલ્ડિંગ ખુરશીઓ પર સ્વિચ કરો. જો બજેટ તેને મંજૂરી આપતું નથી, તો તમે તેમને ભાડે આપી શકો છો. તમારી બેઠકને સ્ટાઇલિશ ફ્લેર આપવા માટે તેમને ફુગ્ગાઓ, ટ્યૂલ અથવા રિબનથી સજાવો. બર્થડે ડેકોરેશન બાળકોની બર્થડે પાર્ટી માટે ટ્રેન્ડિંગ થીમ્સ જન્મદિવસ એક દિવસ છે જેની દરેક વ્યક્તિ રાહ જુએ છે. જો કે, એક બાળક જન્મદિવસની પાર્ટીને ખાસ અને યાદગાર બનાવવા માટે સુંદર થીમ, રંગબેરંગી સજાવટ અને મનોરંજક પ્રવૃત્તિઓનું આયોજન કરવું જરૂરી છે.